તમે મેઇલ એપ્લિકેશન ખોલી શકો છો, ઇનબૉક્સ માટે સંપાદિત કરો પર ટેપ કરી શકો છો અને તમને જરૂર ન હોય તેવા ઇમેઇલ્સ કાઢી શકો છો. તમે ઉપયોગ કરતા નથી તે એપ્સને ઓફલોડ કરો, એપ્લિકેશન ડેટા કાઢી નાખ્યા વિના સ્ટોરેજ સાફ કરવાની આ એક ઉપયોગી રીત છે. ફક્ત સ્ટોરેજ સેટિંગ્સમાં કોઈપણ એપ્લિકેશન પર ટેપ કરો અને તમને એપ્લિકેશનને ઓફલોડ કરવાનો વિકલ્પ દેખાશે. એપ્લિકેશન દ્વારા ઉપયોગમાં લેવાતા સ્ટોરેજને ખાલી કરશે, પરંતુ દસ્તાવેજો અને ડેટા સાચવવામાં આવશે. જ્યારે તમે ફરીથી ઇન્સ્ટોલ કરો છો, ત્યારે એપ્લિકેશન તમારા ડેટાને પણ પુનઃસ્થાપિત કરશે. અથવા તમે ફક્ત તે બધી વધારાની એપ્લિકેશનો કાઢી શકો છો જે તમે ડાઉનલોડ કરી છે અને ક્યારેય ઉપયોગમાં લીધી નથી. સફારી બ્રાઉઝરમાંથી ડેટા સાફ કરો. સફારી અને ક્રોમ જેવી વેબ બ્રાઉઝર એપ પણ તમારા પર ઘણો અસ્થાયી ડેટા બચાવે છે. આઇફોન સ્ટોરેજ વિભાગમાં સેટિંગ્સમાં સફારી પર જાઓ. વેબસાઇટ ડેટા પર ટૅપ કરો અને તમામ વેબસાઇટ ડેટા કાઢી નાખો. આ તમામ કામચલાઉ કેશ સાફ કરશે અને ફરીથી થોડી જગ્યા બચાવવામાં મદદ કરશે. મેસેજ કાઢી નાખો:જો તમે ઘણા બધા જૂના સંદેશાઓ સાફ કર્યા નથી, તો તે તમારા પર ઘણી બધી જગ્યા લઈ રહ્યા છે. આને સાફ કરવા અને દૂર કરવામાં થોડો સમય અને પ્રયત્ન લાગી શકે છે, પરંતુ તેમ કરવું અને થોડી જગ્યા પાછી મેળવવી શ્રેષ્ઠ છે. આ પણ વાંચો, ના આ ટેન ફીચર્સ ફોનનો ઉપયોગ સરળ બનાવશે. ગુજરાતી સમાચાર, બ્રેકીંગ ન્યુઝ ગુજરાતીમાં મેળવો સોંથી પહેલા. પર, સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ પર મેળવો હેચબેક કાર. શું ખરેખર ભારતમાં સસ્તી કારનો અંત આવી રહ્યો છે? છેલ્લા દાયકા સુધી, ભારતીય રસ્તાઓ પર મારુતિ અને હ્યુન્ડાઈની નાની કારોનું પ્રભુત્વ હતું. કંપનીઓના વેચાણના આંકડામાં આ ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. મારુતિની સૌથી વધુ વેચાતી કારમાંથી અડધાથી વધુમાં અલ્ટો અને વેગનઆર જેવી કારનો સમાવેશ થાય છે. પરંતુ હવે ચિત્ર સાવ વિપરીત છે. નાઇન્ટીન માં, ડેટા મુજબ, એન્ટ્રી-લેવલ હેચબેક કાર સેગમેન્ટનો કારના વેચાણમાં હિસ્સો હતો, અને તેના પાંચ મોડલ હતા, મારુતિ સુઝુકી અલ્ટો, ઓલ્ડ વેગન આર, હ્યુન્ડાઇ ઇઓન, રેનો ક્વિડ અને ટાટા નેનો. હાલમાં જ એવા સમાચાર આવ્યા છે કે એ તેની તાજેતરમાં રિલોન્ચ થયેલી નાની કાર સેન્ટ્રોને બંધ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ ટ્વેન્ટી માં, જ્યાં ટાટાની નેનો અને હ્યુન્ડાઈની ઇઓન અને મારુતિ સુઝુકીની જૂની વેગન આર બંધ કરવામાં આવી હતી, તેમનો વેચાણ હિસ્સો ઘટીને થયો હતો. વિશ્લેષકોના મતે, આ વલણને જોતાં, એન્ટ્રી-લેવલ હેચબેકના વેચાણના હિસ્સામાં ઘટાડો થવાની ધારણા હતી. હવે તેમની યાત્રા ઢાળ તરફ દેખાઈ રહી છે.